ગદર બે 'એ રવિવારે મચાવી ધૂમ, 'બે' નો તોડ્યો રેકોર્ડ! પરંતુ 'ગદર બે' આવો ધમાકો કરી શકે છે, ભાગ્યે જ કોઈએ તેની રિલીઝ પહેલા વિચાર્યું હશે. શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'ગદર બે' એ ઓપનિંગ કલેક્શનથી જ ફિલ્મનો બિઝનેસ ચોંકાવી દીધો હતો. પરંતુ 'ગદર બે' એ ત્રીજા દિવસે એટલે કે રવિવારે બોક્સ ઓફિસ પર જે કમાણી કરી છે, તે બે હજાર ત્રેવીસની બધી હિટ ફિલ્મ કરતા વધારે છે. શુક્રવારે ચાલીસ કરોડ રૂપિયાથી વધુની ઓપનિંગ બાદ શનિવારે 'ગદર બે'ની કમાણીમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. બીજા દિવસે ત્રેતાલીસ કરોડ રૂપિયાના કલેક્શન સાથે બે દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન ત્યાસી કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. રવિવારે ફિલ્મનું એડવાન્સ બુકિંગ પહેલા બે દિવસની સરખામણીએ સારું હતું અને તેની કમાણીમાં ફરી એકવાર સારો ઉછાળો આવવાનો છે તે નિશ્ચિત હતું. ત્રીજા દિવસે પણ ફિલ્મની કમાણીમાં વધારો થયો છે, પરંતુ આ ગ્રોથ એટલો જોરદાર છે કે મોટી ફિલ્મોમાં પણ આવું નથી થયું. 'ગદર બે'નું રવિવારનું કલેક્શન, સની દેઓલની ફિલ્મે રવિવારે સિનેમાઘરોમાં એટલી ધૂમ મચાવી હતી કે ઘણા થિયેટરોમાં ફિલ્મના તમામ શો હાઉસફુલ થઈ ગયા હતા. બે દિવસમાં તોફાની કમાણી કરનાર આ ફિલ્મ રવિવારે જાણે સુનામી મોડમાં આવી ગઈ હતી. અત્યાર સુધી માત્ર ચાર હિન્દી ફિલ્મો હતી જેણે બોક્સ ઓફિસ પર એક જ દિવસમાં રૂપિયા પચાસ કરોડ કે તેથી વધુ કમાણી કરી હતી પઠાણ, વોર અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન. હવે આ ખાસ યાદીમાં 'ગદર બે' પણ જોડાઈ ગઈ છે. પહેલા રવિવારે કરી ધમાકેદાર કમાણી અત્યાર સુધી, માત્ર બે જ ફિલ્મો એવી હતી જેણે પહેલા રવિવારે રૂપિયા પચાસ કરોડથી વધુ કમાણી કરી હતી – પઠાણ, બાહુબલી બે રવિવારે સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી હિન્દી ફિલ્મ છે. તેનો પ્રથમ રવિવાર હવે 'ગદર બે' રવિવારે સૌથી વધુ કમાણી કરનાર બીજી હિન્દી ફિલ્મ છે. આ કલેક્શન સાથે ફિલ્મે ત્રણ દિવસમાં એકસો ચોત્રીસ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. સની દેઓલનો તારા સિંહ અવતાર આજે પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને 'ગદર બે'ની કમાણી તેનો પુરાવો છે. મંગળવારે સ્વતંત્રતા દિવસની રજા ફરી એકવાર 'ગદર બે'ને સારી કમાણી કરાવશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સનીની ફિલ્મ એક અઠવાડિયામાં કયા મોટા રેકોર્ડ્સ પાછળ છોડી દે છે.